ગોલમાલ ફાઈવ માં અક્ષય કુમાર બનશે 'બાદશાહ.' 'બાલા' જેવા અંદાજમાં અજય દેવગણ સામે લડાઈ લડશે, સુપરપાવર્સવાળી બાળકી હશે વાર્તાનું કેન્દ્ર. રોહિત શેટ્ટીની કોમેડી ફ્રેન્ચાઇઝ 'ગોલમાલ'ની પાંચમી કીસ્તને લઈને ઇન્ડસ્ટ્રીમાં ચર્ચાઓ તેજ છે. ફિલ્મ હજુ બનવાની પ્રક્રિયામાં છે, પરંતુ પ્રોડક્શન અને ક્રૂ સાથે સંકળાયેલા સૂત્રોના હવાલાથી તેના શેડ્યૂલ, સ્ટારકાસ્ટ, વાર્તા અને પાત્રો સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. દિવ્ય ભાસ્કરને મળેલી ખાસ માહિતી અનુસાર, આ વખતે ફિલ્મમાં અક્ષયની એન્ટ્રી સૌથી મોટું આકર્ષણ હશે, જ્યારે વાર્તા હોરર-કોમેડી અને સુપરનેચરલ તત્વોની આસપાસ ગૂંથવામાં આવી છે. મુંબઈમાં આગામી મોટા શેડ્યૂલ શરૂ થવાની તૈયારનીચાલી રહી છે. ફિલ્મનો લગભગ એંસી થી પંચ્યાસી ટકા ભાગ મુંબઈના સ્ટુડિયો અને અલગ-અલગ લોકેશન્સ પર શૂટ થઈ રહ્યો છે. એક્ટર્સને તેમના પાત્રો અનુસાર દસ થી પંદર દિવસના સ્લોટમાં બોલાવવામાં આવી રહ્યા છે. પ્રથમ મુખ્ય શેડ્યૂલ ઊટીમાં પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યાં કેટલાક ગીતો અને પેચવર્કનું શૂટિંગ કરવામાં આવ્યું. આ ઉપરાંત ગોવા પણ ફિલ્મની વાર્તાનો મહત્વનો ભાગ રહેશે. જુલાઈથી આગામી મોટો શેડ્યૂલ શરૂ થશે. અક્ષયનું પાત્ર ફિલ્મમાં તમિલનાડુના 'બાદશાહ' તરીકે દર્શાવવામાં આવશે. ફિલ્મમાં અક્ષય કથિત રીતે મુખ્ય વિલન કે એન્ટી-હીરોની ભૂમિકામાં જોવા મલી શકે છે. સૂત્રો અનુસાર, તેનું પાત્ર 'હાઉસફુલ ફોર'ના ચર્ચિત 'બાલા' અવતારથી પ્રેરિત હોઈ શકે છે. વાર્તામાં આ પાત્રને તમિલનાડુની પૃષ્ઠભૂમિવાળા 'બાદશાહ' નામથી રજૂ કરવાની ચર્ચા છે. અક્ષય અને અજય દેવગન-અરશદ વારસીની ગેંગ વચ્ચે એક મોટો એક્શન-કોમેડી સિક્વન્સ પહેલેથી જ શૂટ કરવામાં આવ્યો છે, જેને ફિલ્મનું મુખ્ય આકર્ષણ માનવામાં આવી રહ્યું છે. શરમન જોશી આ વખતે અજય દેવગનની નહીં, અક્ષયની ટીમનો ભાગ હશે. પહેલી 'ગોલમાલ' પછી ફ્રેન્ચાઇઝથી અલગ થયેલા શરમન જોશી આ વખતે વાપસી કરી રહ્યો છે. તે પોતાના જૂના પાત્ર અને તે જ ઓળખ સાથે વાર્તામાં પાછો ફરશે. જોકે, આ વખતે તેનો ઝુકાવ ગોપાલની ટીમ કરતાં અક્ષયના પાત્ર તરફ દેખાઈ શકે છે, જેનાથી વાર્તામાં નવો સંઘર્ષ પેદા થશે. સુપરપાવર્સ નો વાળી બાળકીના રોલ માટે નવી ચાઈલ્ડ આર્ટિસ્ટ કાસ્ટ થઈ. 'ગોલમાલ અગેઇન'ની હોરર-કોમેડી સફળતા પછી રોહિત શેટ્ટી તે જ શૈલીને નવી રીતે આગળ વધારી રહ્યા છે. વાર્તા એક એવી બાલિકાની આસપાસ ફરશે, જેને રહસ્યમય શક્તિઓ પ્રાપ્ત થાય છે. આ ભૂમિકા માટે કોઈ સ્ટારકિડને ન પસંદ કરીને મુંબઈ બહારની એક નવી બાળ કલાકારને પસંદ કરવામાં આવી છે. રોહિતના કોપ યુનિવર્સમાંથી રણવીર સિંહના કેમિયોની પણ ચર્ચા છે. પરિણીતિ ચોપરા આ વખતે પ્રોજેક્ટનો ભાગ નથી. તબુની હાજરી અંગે પણ સ્થિતિ સ્પષ્ટ નથી. જ્યારે અજય તેના ક્લાસિક 'ગોપાલ' લુકમાં જ જોવા મળશે. ફિલ્મમાં રોહિતના કોપ યુનિવર્સમાંથી રણવીર સિંહના સંભવિત સ્પેશિયલ અપિયરન્સ અને ક્લાઇમેક્સમાં કેટલીક સરપ્રાઇઝ એન્ટ્રીની પણ ચર્ચાઓ છે.